આથી સરકારને સોફ્ટવેર ખરીદવા પડ્યા જે રીતે તેઓ ખુરશી અને બ્રાઉની અને ટેંકસ ખરીદે છે: સરકારના નિયમો જે પેજ થી પણ લાંબા છે. આથી હા, હજુ ઘણી વસ્તુઓ વિખરાયેલી છે સરકારમાં. પણ જો તમે વિચારતા હોય કે સીલીકોન વેલી તારણહાર છે આ વાર્તામાં, તમારા માટે બીજી વસ્તુ આવે છે. થોડાક શ્રેષ્ઠ અને તેજસ્વી દિમાગ તકનીકીમાં કામ કરી રહ્યા છે ભોજન-ડિલિવરીના સ્ટાર્ટઅપ પર અને સ્કુટર પર. અને કઈ રીતે ગાંજો લોકો સુધી સારી રીતે પહોચાડવો શું આ ખુબ જરૂરી વસ્તુઓ છે અત્યારે કરવા જ માટે? સીલીકોન વેલીને દુનિયાને સારી બનવાની વાતો બહુ ગમે છે પણ તમે તમારી અસરને ખુબ ઊંડાણ પૂર્વક અનુભવો છો સરકારમાં. આ કોઈ ના પિતા ગુજરી ગયા છે. એને મને શોધ્યો ટ્વીટર પર કહ્યું કે અમે જે સીસ્ટમ સુધારી એ ખરા સમયે તેને કામ આવી. ઘણા સમય, સરકારને ઘણું કામ કરવું પડે છે અને કેમ અમને સરકારમાં સંશોધનો જોઈએ. હવે મારે એક વાત સ્વીકારવી છે. જયારે હું ડીસી આવું છું, હું ક્યારે શબ્દ વાપરું છું જેવા કે બાબુઓ હાલ માં, હું શબ્દો વાપરું છું જેવાકે નગર સેવક. જેમકે ફ્રાન્સીન, જે તમને રોવડાવી શકે છે. અથવા માત્ર મને, તે રોવડાવી ચુકી છે, કેમકે તે પ્રેરણાદાયક છે. હું પણ મારા સાથીઓ માટે ખુબ જ, અનહદ ગર્વ અનુભવું છું. તેઓ તર્કથી પરીસ્થિતિ પર કાર્ય કરે છે અને રાતોરાત કામ કરે છે પરિણામ મેળવવા. સરકાર મોટા પગાર ના બોનસ આપી નથી સકતી, આથી અમે અમારૂ પુરસ્કાર બનાવ્યું છે. અમારો મેસ્કોટ મોલી નામનો કરચલો છે. અને પુરસ્કાર ખરેખર કરચલાના આકારનું પર્સ છે, લોખંડની શીટ માં સ્ક્રુ કરેલું. હાલ, હું ચાંદીની ગોળીમાં ઓછો વિશ્વાસ રાખું છું જે બધું બરાબર કરી દેશે. મને વિશ્વાસ છે કે લોકો મદદ કરવા બહાર આવે. જો તમે કઈ ઠોસ અર્થપૂર્ણ શોધી રહ્યા છો -- અને આખું જાહેરાતવાળું, ઘણીવાર બહુ નિરાશાજનક-- અહી તમારે જાણવું જરૂરી છે. થોડુક અઘરું અને અવ્યવસ્થિત અને મહત્વપૂર્ણ અને જાદુઈ થઇ રહ્યું છે જયારે નગર સેવકો ટેકનોલોજી સાથે જોડાઈ છે શહેર અને રાજ્ય અને દેશ સ્તરે. તમારે હમેશા કરવાની જરૂર નથી પડતી. પણ તમે લોકોની સેવામાં બદલાવ લાવી શકો છો અત્યારે. આભાર. વીસ મી જુલાઈ ના સાંજે ચાર વાગ્યાની આસપાસ મનુષ્યજાત ચંદ્રની સપાટી પર પહોંચવા માટે માત્ર મિનિટો જ દૂર હતી। ખગોળશાસ્ત્રીઓ તેમનું અંતિમ અવરોહણ કરે તેના પહેલા જ ઇમરજન્સી એલાર્મ વાગ્યો. કોમ્પ્યુટરમાં કઈંક ઓવરલોડ થતું હતું, જેને લીધે લેન્ડિંગ રોકવું પડે તેમ હતું. અહીં પૃથ્વી પર, માર્ગારેટ હેમિલ્ટને તેનો શ્વાસ રોકી લીધો.